તેમના કુટુંબને આધાર આપવા માટે કામ કરવા તેના પિતા એલએ ગયા હતા અને કોઈપણ વફાદાર પિતાની જેમ તે ઘરે પાછો ગયો ગ્વાટેમાલા ભેટો લઈને. તે સપ્તાહમાં તેમણે તેમના મોટા પુત્રને મોટરસાયકલ રજૂ કર્યું હતું. પુત્ર ગાડી ચલાવતો હતો, પિતા પાછા ઘરે આવ્યા કુટુંબ મિજબાની માંથી, એક ગેંગ સભ્ય સવાર આવ્યો અને પપ્પાને પાછળથી બંદૂકની ગોળી મારી. તે ભૂલથી થયેલી ઓળખનો કેસ હતો પણ આ દેશમાં ખૂબ સામાન્ય ઘટના. પરંતુ નુકસાન થયું હતું. બુલેટ પસાર થઈ પિતા દ્વારા અને પુત્રમાં. આ હિંસાનું યાર્દચ્છિક કૃત્ય નહોતુ પરંતુ સામાજિક હિંસાનું એક ઉદાહરણ હતું વિશ્વના એક ક્ષેત્રમાં જ્યાં આ માપદંડ બની ગયો છે. મુક્તિ જ્યારે બધા રાજ્યમાં ખીલે છે અને સરકારી સંસ્થાઓ વ્યક્તિગત રક્ષણ કરવામાં નિષ્ફળ થાય છે. ઘણી વાર, પરિણામ લોકોને તેમના ઘરો છોડવા અને ભાગવા માટે દબાણ કરે છે અને સલામતીની શોધમાં મોટા જોખમો લે છે. હોસ્પિટલ જવાના માર્ગમાં જેરીકાના પિતાનું અવસાન થયું. તેમના શરીરથી તેમના પુત્રનો જીવ બચ્યો હતો. અમે સાર્વજનિક હોસ્પિટલમાં પહોંચ્યા. સાર્વજનિક હોસ્પિટલના દરવાજા સુધી મેં એક યુવતીને જોઇ ગુલાબી પટ્ટાવાળા શર્ટમાં, ચીસો પાડતી. કોઈએ નાની છોકરીને દિલાસો આપ્યો નહીં તેથી તેણીએ તેના નાના હાથો પકડ્યા. તે એ માણસની સૌથી નાની પુત્રી હતી. તેનું નામ જેરિકા એસ્ટ્રાડા હતું. આ દિવસોમાં, જ્યારે લોકો મને પૂછે છે શા માટે યુવાન માતા ચાર મહિનાનાં બાળકો સાથે હજારો માઇલ મુસાફરી કરશે, જાણીને તેઓ સંભવિત યુનાઇટેડ સ્ટેટ્સમાં કેદ થઈ જશે, મને જેરિકા યાદ છે અને હું તેના અને તેના દુઃખનો વિચાર કરું છું અને બચાવનાર તેના પિતાનો જેમણે પોતાના શરીરથી તેમના પુત્રનું જીવન બચાવ્યું અને હું ખરેખર માનવ જરૂરિયાતને સમજી શકું છું. હું ઇચ્છું છું કે તમે થોડો સમય કાઢો અને ધ્યાનમાં રાખો કે તમે અત્યારે શું પહેરી રહ્યા છો. મારી પાસે એક ઊંડો દાર્શનિક સવાલ છે તમારા માટે, "આપણે બધા અત્યારે આરામદાયક પાયજામા શા માટે નથી પહેરી રહ્યા અત્યારે?" હાસ્ય સારું. હું મનોવૈજ્ઞાનિક છું અને મન વાંચનાર નહીં જોકે ઘણા લોકો વિચારે છે તે જ વસ્તુ છે. હું તમને વિશ્વાસ મૂકી શકું છું કે તમારો પ્રતિસાદની રેખાઓ સાથે ક્યાંક છે, "મને જાહેરમાં પાયજામા ના પહેરવાની અપેક્ષા છે" અને "હું નથી ઇરછતો કે લોકો વિચારે કે હું આળસું છું." કોઈપણ રીતે તે હકીકત છે કે આપણે બધા કેઝ્યુઅલ કપડાં પહેરવાનું પસંદ કર્યું. અમારા મનપસંદની વિરુદ્ધ પરસેવોની જોડી કોઈ મૂર્ખ સંયોગ નથી.